રાજકોટ લોકસભા બેઠક ઉપર ત્રેસઠ ટકા જેટલું મતદાન થયું હોવાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હારજીતની રસાકસી જામશે તેવું જાણકારી કહી રહ્યાં છે. તેઓને સંભવિત અકસ્માત અને જાનહાનિની ગંભીરતા સમજાવવા માં આવી રહી છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાને સાબરમતી નદી ઉપર બંધાયેલા ધરોઈ ડેમમાં હાલ તેની ક્ષમતા પ્રમાણે ત્રણેય જિલ્લાને અપાતો પાણીનો જથ્થો સોળ કરોડ લીટર આસપાસ રહે છે. હવામાન ખાતાની યાદીના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, સાંબરકાઠા ,અમરેલી ,રાજકોટ અને કચ્છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.મતગણતરી સમયે માન્ય પ્રતિનિધિ તરીકે જેમને હાજર રહેવાનું છે તેવા કાર્યકરોને તાલીમ આપવાનું કામ ભાજપ અને કોંગ્રેસ દ્વારા શરૂ થઈ ગયું છે. તેલ અવિવ યુનિવર્સિટીમાં સાયબર સિક્યુરીટી વિશે યોજાયેલા આંતરરાષ્ટ્રીય તાલીમ વર્ગમાં ભાગ લેવા જનાર ચારેય વિદ્યાર્થીની પસંદગી માટે જીટીયુના વહીવટીતંત્ર દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી. આણંદ લોકસભા બેઠક માટેની મતગણતરી વલ્લભવિદ્યાનગર ખાતે યોજાશે .ભવિષ્યની લડાઈમાં સાયબર વોર જેવો પ્રકાર ટેકનોલોજીના આધારે અનિવાર્ય બનશે તેની પણ ચર્ચા અહીં થઈ હતી .ગુજરાત ઉપર પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં એક બે ડિગ્રીનો વધારો થવાની આગાહી પણ હવામાન નિયામક જયંત સરકારે કરી છે. લોકસભાની આણંદ બેઠક ઉપર છાસઠ ભાજપ તરફથી વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયા તો કોંગ્રેસ તરફથી લલિતભાઈ કગથરા મુખ્ય હરીફ છે. છત્રીસ ટકા જથ્થો ઉપયોગ લાયક ગણી શકાય.ત્યારે આર ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે મોદી સરકારે પાંચ વર્ષમાં કરેલી કામગીરીને મતદાર આલમે વધાવી લીધી હોય તેવી રૂખ એક્ઝિટ પોલમાં વ્યક્ત થાય છે જેને વિકાસના રાજકારણનો ઉત્તમ દાખલો ગણી શકાય .વાલસુરા નૌકાદળ મથક ખાતે સાયબરસુરક્ષા જાળવવાની તરકીબ શીખવતો સેમીનાર યોજાઈ ગયો જેમાં સૈન્યની ત્રણેય પાંખમાંથી અડત્રીસ જેટલા તાલીમાર્થી અધિકારી હાજર હતા. રાજકોટ ખાતે લોકસભા ચૂંટણી માટેની મતગણતરી ઈજનેરી કોલેજ ખાતે યોજાનાર હોવાથી ત્યાં વ્યવસ્થા ગોઠવણીનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે .ગયા ઉનાળામાં ઉકાઈ ડેમનું લાઇવ સ્ટોરેજ હાલ કરતા બમણું હતું. આણંદ જિલ્લા ચૂંટણી શાખાના જણાવ્યા પ્રમાણે કુલ ચૌદ ટેબલ ઉપર મત ગણતરી યોજાનાર હોવાથી પંદર થી અઢાર રાઉન્ડ કરવા પડશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું છે કે ચૂંટણી પરિણામ વિશે આગાહી કરતા તમામ એક્ઝિટ પોલ મોદી સરકારના પુનરાગમનની વાત કરે છે તે હકીકતમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતાનો પુરાવો છે. હાલ જળાશયનું લાઈવ સ્ટોરેજ માત્ર સાડા ચાર ટકા જેટલું છે અને પાણીના આ જથ્થાનો ઉપયોગ જો ફક્ત પીવા માટે કરાય તો પંદર જુલાઈ સુધી વાંધો નહીં આવે તેમ તંત્રનું કહેવું છે।